બહુ દૂર નહીં પણ આપણા જ રાજ્યના એક નાના શહેરમાં એક વૃદ્ધ માતા રહેતી હતી, જેમનું નામ હતું વિમળાબેન. વિમળાબેનને બે દીકરા હતા – રમેશ અને સુરેશ. બંને દીકરાઓ સારી રીતે ભણેલા-ગણેલા હતા અને શહેરમાં મોટી કંપનીઓમાં સારી નોકરી કરતા હતા. તેઓ પોતાના પરિવાર સાથે સુખેથી રહેતા હતા, પણ માતા પ્રત્યેની તેમની ફરજ જાણે ભૂલી ગયા હતા. વિમળાબેન જ્યારે તેમના ઉછેર માટે રાત-દિવસ મહેનત કરી હતી, ત્યારે તેમણે ક્યારેય પૈસાની કમી મહેસૂસ થવા દીધી નહોતી. પણ હવે, વૃદ્ધાસ્થામાં જ્યારે તેમને દીકરાઓના સહકારની સૌથી વધુ જરૂર હતી, ત્યારે બંને દીકરાઓ મહિનાના ઘરખર્ચ માટે પૂરતા પૈસા આપવામાં આનાકાની કરતા હતા. દરેક વખતે પૈસા માંગતી વખતે વિમળાબેનને દીકરાઓની વાત સાંભળવી પડતી: મા, અત્યારે ખર્ચ વધારે છે, અથવા "આ મહિના ને પગાર મોડો આવશે" એક દિવસ વિમળાબેને નક્કી કર્યું કે હવે આ રીતે નહીં ચાલે. તેમણે પોતાના દીકરાઓને એક પાઠ ભણાવવાનો વિચાર કર્યો, જે તેમને તેમની ફરજનું ભાન કરાવે. વિમળાબેને થોડા દિવસો સુધી બંને દીકરાઓને પાસેથી કોઈ પૈસા માંગતા નહીં. તેના બદલે, તેમણે એક યોજના બનાવી. તેમણે શહેરની બહાર પોતાના નામ પર પડેલી એક નાની જમીન હતી, જે ઘણા વર્ષોથી ખાલી હતી. એક સાંજે વિમળાબેને બંને દીકરાઓને પોતાના ઘરે બોલાવ્યા. દીકરાઓ આવ્યા, પણ તેમને લાગ્યું કે મા ફરી પૈસા માટે બોલાવી રહી હશે. વિમળાબેન શાંતિથી બેઠા હતા. તેમણે કહ્યું, મારા વહાલા દીકરાઓ, તમે બંને ખુશ તો છો ને? રમેશે જવાબ આપ્યો, હા મા, અમે બરાબર છીએ. કેમ અચાનક બોલાવ્યા? વિમળાબેને હસીને કહ્યું, તમે લોકો મારા ખર્ચની બહુ ચિંતા કરો છો. મને થયું કે હવે તમારે ચિંતા ન કરવી પડે, તેથી મેં એક નિર્ણય લીધો છે. સુરેશ થોડો આશ્ચર્યચકિત થયો, કેવો નિર્ણય, મા? વિમળાબેને એક કાગળ કાઢીને ટેબલ પર મૂક્યો અને કહ્યું, મારી પાસે જે શહેરની બહારની જમીન છે, તે હવે હું વેચવાની છું. તેનાથી મા મને સારા પૈસા મળી જશે. એ પૈસા હું મારી પાસે જ રાખીશ, જેથી મારે મારા નાના-મોટા ખર્ચા માટે તમારા બંને પાસે હાથ લંબાવવો ન પડે. આ સાંભળીને બંને દીકરાઓ ચોંકી ઉઠ્યા. એ જમીનની કિંમત હવે કરોડોમાં હતી, અને બંને દીકરાઓ મનમાં વિચારતા હતા કે મારો હિસ્સો કેટલો હશે. રમેશ તરત જ બોલ્યો, અરે મા! તું આ શું કહે છે? પૈસાની તારે ક્યાં જરૂર છે? તું ખાલી કહે તો ખરી! અમારા દીકરાઓ છીએ! તું જમીન વેચી નાખે તો ! સુરેશે તરત જ વાત પકડી લીધી, હા મા, આટલા મોટા નિર્ણય